વર્તમાનમાં એસીપી પાસે વિધાનસભામાં કુલ ત્રેપ્પન ધારાસભ્યો છે. અજીત પવાર જૂથના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે ચાળીસ ધારાસભ્યોનું સમર્થન છે. અજીત પવાર એકદમ આગળ વધી રહ્યા છે. અત્યારે તેમની સાથે ઊભા છે. અત્યાર સુધીના દાવાઓ પ્રમાણે તેમની પાસે પુરતા નંબર છે. આવી સ્થિતિમાં દળ બદલીને કાયદાના અનેક નિયમથી તેમને સુરક્ષા મળી શકે છે. હવે પ્રશ્ન એ ઊભા થાય છે કે ચૂંટણી આયોગ આવી પરિસ્થિતિમાં કોને સપોર્ટ કરે છે. જેણે બળવો કર્યો એને માન્યતા આપવામાં આવે છે અથવા તો જેની સાથે દગો થયો તેના પક્ષમાં નિર્ણય જાય છે. હવે અહીં પણ પક્ષ બદલ કાયદાના સહારે ચૂંટણી આયોગ પણ કોઈ નિર્ણય આપે છે તો આ સમયે અજીત પવારે પણ એનસીપીમાં ફૂટ તો પાડી દીધી છે. અનેક દાવાઓ થઈ રહ્યા છે પરંતુ દાવોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારે પોતાના પત્તા હજી સુધી ખોલ્યા નથી. અમિત શાહ દેશ મહારાષ્ટ્ર રાજકારણ અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, તેમના નામે નોંધાયો રેકોર્ડ અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, તેમના નામે નોંધાયો રેકોર્ડ અજિત પવારે આજે રવિવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અજિત પવારે પાંચ મી વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે. અજિત પવારે આજે રવિવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા ફરી એક વખત મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચામાં છે. આજે રવિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. અજિત પવાર એકનાથ શિંદેના મંત્રીમંડળમાં સામેલ થઇ ગયા છે. અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. અજિત પવારે પાંચમી વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે. ત્યારે તેમના નામે ચૌદ મી વિધાનસભામાં ત્રણવાર શપથ લેવાનો રેકોર્ડ છે. વર્ષ પછી અજિત પવાર ત્રીજી વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નિમાયા છે. આ મામલો ત્રેવીસ નવેમ્બર વર્ષ બે હજાર ઓગણીસ નો છે. જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કરી હતી. તો બીજી તરફ દ્વારા અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરી અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. જો કે, શપથ લીધા પછી, બંને માત્ર એંસી કલાક માટે જ પોતપોતાના પદ પર રહી શક્યા હતા, ત્યારબાદ આ સરકાર પડી ગઇ હતી અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારનો સુર્યોદય થયો હતો. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર સત્તાપર આવી હતી. જેમાં અજિત પવાર ફરી નાયબ મુખ્યમંત્રી બન્યા. તેવામાં આજે રવિવારે ફરી એકવાર તેમને એકનાથ શિંદે સાથે જોડાઇને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ બાદ હવે અજિત પવારને લઇને મોટી ચર્ચાએ જોર પકડ્યું છે. અજિત પવાર ભાજપમાં જોડાશે? કે પછી માં ભાગલા ફૂંટ? અજીત પવારને નાયબ મુખ્યમંત્રી બનવા તરફેંણ ચાળીસ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.